તેમની ફિલ્મો બાઝાર ઉમરાઉ જાન અને મીરા નાયરની ઓસ્કાર એવોર્ડ માટે નામાંકિત ફિલ્મ સલામ બોમ્બેમાં તેમણે સુંદર અભિયન કર્યો હતો એવી જ રીતે કોંગ્રેસે પણ મુંબઇમાં પક્ષના કાર્યાલય ખાતે તાકીદની બેઠક યોજી છે કારના બે કબજેદારો પૈસાના સ્ત્રોતને સ્પષ્ટ કરવા માટે માન્ય કાગળો પૂરા પાડવામાં નિષ્ફળ થયા પછી રોકડ રકમ કબજે કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટવીટમાં દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારને એક ટવીટમાં દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે અભિનંદન આપ્યા છે મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારના અધિકારીઓની એક ટુકડી ગઇકાલથી વિદર્ભ ક્ષેત્રની ચાર દિવસીય મુલાકાતે છે તેઓ કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનની સ્થિતિનો તાગ મેળવશે તેમણે કહ્યું કે પ્રદૂષણ રોકવા માટે છોડ લગાડવા એક સારો ઉપાય થઈ શકે છે કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે જણાવ્યું હતું કે આ બધા જ ઘટનાક્રમમાં કોંગ્રેસ બિનજરૂરી રીતે બદનામ થઇ છે તેઓ શૌકત આઝમી તરીકે પણ ઓળખાય છે અને જુદા જુદા સ્થળોએ બાકીના અમૃત સ્ટોર પરના કામ વિવિધ તબક્કે ચે ના બધા ધારાસભ્યોની આજે બપોરે સાડા ચાર વાગે બેઠક બોલાવી છે પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે પ્રદૂષણને રોકવા માટે શહેર પ્રમાણે આયોજન કર્યું છે કેન્દ્ર સરકારના અધિકારીઓની એક ટુકડી કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકશાનની સ્થિતિનો તાગ મેળવવા મહારાષ્ટ્રના વિદર્ભની ચાર દિવસની મુલાકાતે છે શપથ ગ્રહણ બાદ શ્રી ફડનવીસે કહયું કે મહારાષ્ટ્રના લોકોએ સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો પરંતુ શિવસેનાએ પરીણામ પછી બીજા પક્ષો સાથે સંકળાવાનો પ્રયત્ન કર્યો જે પછી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીના નેતા અજીત પવારને ઉપમુખ્યમંત્રી તરીકે આજે સવારે રાજભવનમાં શપથ લેવડાવવામાં આવ્યા સંયુકત રાષ્ટ્ર સંઘ પરીષદે દુનિયાભરમાં રાસાયણિક હથિયારો ના મોટા પાયે ઉપયોગના કિસ્સાઓના વિરોધ દોહરાવ્યો છે ચાર ઈંધણ માપદંડ અપનાવ્યા પછી આ વાહનોથી થનારા પ્રદૂષણમાં એંસી ટકા ઘટાડો થયો છે તેના ઠરાવમાં સુરક્ષા પરીષદે દેશોના સંમેલનને બહાલી આપવા વિનંતી પણ કરી હતી તેમણે કહ્યું કે હાલમાં ત્રણ સો પંચાવન શહેરોમાં પ્રદૂષણનું નિરીક્ષણ કરવામાં આવે છે ગઈકાલે લોકસભામાં હવા પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન અંગેની એક ચર્ચામાં જવાબ આપતા શ્રી જાવડેકરે આ સમસ્યા ઉકેલ માટે દરરોજ કામ કરવાની જરૂર પર ભાર મૂક્યો રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ એક સાદા સમારંભમાં બંને નેતાઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા અને શિવસેના સાથે જોડાણની વિચારણા એ જ ભુલ કહી શકાય તેમના પતિ કૈફી આઝમી પ્રખ્યાત ઉર્દુ કવિ અને ફિલ્મ ગીતકાર હતા તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ અને બોન એન્ડ જોઇન્ટ હોસ્પિટલમાં બે અમૃત સ્ટોર્સનું કામ પુરુ થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને નેતાઓને અભિનંદન પાઠવ્યા તેમના જમાઇ પ્રસિધ્ધ લેખક ગીતકાર જાવેદ અખતરે આ સમાચારની પુષ્ટી કરી હતી મંત્રીશ્રીએ કહ્યું કે હેવી ડ્યુટી ડીઝલ વાહનોએ બી એક્યાસી સભ્યોની ઝારખંડ વિધાનસભા માટે ત્રીસ નવેમ્બરથી વીસ ડિસેમ્બર સુધી પાંચ તબકકામાં મતદાન થશે શ્રી જાવડેકરે સૂચન કર્યું કે પ્રત્યેક નાગરીકે ઓછામાં ઓછા સાત છોડ લગાવવા જોઈએ।